આ સંપૂર્ણ સોદો કરોડ રૂપિયાનો હતો. ઓગસ્ટ બે હજાર બાવીસમાં કરાર થયો હતો. અદાણી ગ્રૂપની પૂર્ણમાલિકીની પેટા કંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જાણકારી આપી હતી કે, તે ગુજરાત રોડ ઇન્ફ્રા કંપની લિમિટેડ અને સ્વર્ણ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ ને હસ્તગત કરશે. જો કે સામા પક્ષ તરફથી નિર્ધારિત સમયમર્યાદામાં શરતો પૂરી કરવાની સ્થિતિ સંતોષજનક ન હોવાથી આ કરાર રદ કરવામાં આવે છે. હોમ લોનના બે લાખથી વધુના વ્યાજ પર કર કપાતનો દાવો ક્યારે કરી શકાય? હોમ લોનના વ્યાજ પેટે ચૂકવાતા બે લાખ સુધીની રકમ પર કર કપાતનો દાવો કરી શકાય છે. જો કે, આ મર્યાદા માત્ર સ્વ-કબજાવાળી મિલકતના કિસ્સામાં જ લાગુ પડે છે. હોમ લોનના વ્યાજ પર કર કપાત હાલ મોટાભાગના લોકો લોન લઇને મકાન-ફ્લેટ ખરીદે છે અને હોમ લોન ઉપર ચૂકવાતા વ્યાજ પર કરમુક્તિનો લાભ મેળવે છે. ટેક્સ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર હોમ લોનધારક જેમણે તેમની મિલકત વેચી દીધી છે, તેઓ આવકવેરા અધિનિયમ ઓગણીસસો એકસઠની કલમ ચોવીસ હેઠળ વ્યાજ તરીકે ચૂકવવામાં આવેલી કોઈપણ રકમ પર કપાત તરીકે દાવો કરી શકે છે. આપણે બધા જાણીયે છે કે, હોમ લોનના વ્યાજ તરીકે ચૂકવવામાં આવેલી બે લાખની રકમ પર કપાતનો દાવો કરી શકાય છે. જો કે આ મર્યાદા માત્ર કરદાતાના કબજામાં રહેલી મિલકતના કિસ્સામાં જ લાગુ પડે છે અને અમુક શરતોને આધીન છે. જો ધિરાણ લેનાર તેની મિલકત અન્યને વેચી દે છે, તો તેને બે લાખ રૂપિયાની મર્યાદા લાગુ થશે નહીં. આરએસએમ ઈન્ડિયાના સ્થાપક ડોક્ટર સુરેશ સુરાનાના જણાવ્યા અનુસાર, જો મિલ્કત વેચી દેવામાં આવી હોય તો હોમ લોનના વ્યાજની કપાત મર્યાદા લાગુ પડતી નથી. વિશ્વના ટોપ-બે અબજોપતિની યાદી, કોણ કેટલુ અમીર અને ગરીબ બન્યું વિશ્વના અન્ય ધનિકો અંબાણી અને અદાણી જેટલા નસીબદાર નથી કારણ કે બ્લુબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર ટોપ-વીસ અબજોપતિઓમાં માત્ર ઉપરોક્ત બંને ભારતીય ઉદ્યોગપતિઓને બાદ કરતા તમામની સંપત્તિમાં તાજેતરમાં ઘટાડો થયો છે. નોટ રદ કરવાથી બેંકોમાં થાપણો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે થાપણોમાં આ વૃદ્ધિ ક્ષણિક હોઈ શકે છે. નોંધનિય છે કે, પાછલા સપ્તાહે રિઝર્વ બેંકે બે હજારના મૂલ્યની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કહ્યું હતું કે હાલની નોટો લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. થાપણદારોના વર્તનના આધારે ડ્યુરેબલ લિક્વિડિટીમાં આશરે એક લાખ કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે. આનાથી બેંકોમાં ક્રેડિટ-ડિપોઝીટ રેશિયો સરળ થઇ શકે.